અમે વજનહીન છીએ. અને મિશન અને જાદુ શરૂ થાય છે. અમે પહોંચીએ છીએ જ્યારે તે બે હસ્તકલા ડોક થાય છે હળવા થંક સાથે. અમે હેચ ખોલીએ છીએ, એકબીજા સાથે બેકાળજિવાળા શૂન્ય જી આલિંગન છે અને હવે અમે છ છીએ. અમે એક સ્પેસ ફેમિલી, એક ઇન્સ્ટન્ટ ફેમિલી છીએ. ત્યાં રહેતા વિશે મારો પ્રિય ભાગ ઉડતી હતી. મને ખુબ ગમ્યું. તે પીટર પાન બનવાનું હતું. તે ફ્લોટિંગ વિશે નથી. ફક્ત આંગળીનો સ્પર્શ ખરેખર તમે તરફ દબાણ કરી શકો છો આખું સ્પેસ સ્ટેશન, અને પછી તમે સ્ટાર્ટ કરો તમારા અંગૂઠા સાથે ટક. મારી એક પ્રિય વસ્તુ ચૂપચાપ વહી રહ્યો હતો સ્પેસ સ્ટેશન દ્વારા, જે રાત્રે સાથે ગુંજારતો હતો. મને ક્યારેક આશ્ચર્ય થયું જો તે જાણ હોત કે હું ત્યાં હતો માત્ર મૌન, પરંતુ આશ્ચર્ય શેર કરી રહ્યા છીએ ક્રૂ સાથે કે મારા માટે જે મહત્ત્વનું હતું તેનો પણ એક ભાગ હતો. અવકાશમાં એક લાક્ષણિક દિવસ સંપૂર્ણ સફર સાથે પ્રારંભ થાય છે. હું જાગું છું, લેબ નીચે ક્રુઝ કરું છું અને શ્રેષ્ઠને હેલો કહો સવારનો નજારો. તે ખરેખર ઝડપી મુસાફરી છે, ફક્ત ત્રીસ સેકંડ અને આપણે ક્યારેય થાકતા નથી. તે બારી બહાર જોવાની મને લાગે છે કે તે અમને યાદ અપાવે છે કે અમે છીએ ખરેખર હજુ પણ પૃથ્વીની ખૂબ નજીક છે. અમારો ક્રૂ બીજા નંબરનો હતો. કેનેડિયન રોબોટિક આર્મનો ઉપયોગ કરવા માટે પુરવઠા વહાણ મેળવવા માટે સ્કૂલ બસનું કદ લગભગ એક ડઝન સમાવે છે .વિવિધ પ્રયોગો અને એકમાત્ર ચોકલેટ જે આપણે જોઈશું આગામી ચાર મહિના માટે. હવે, ચોકલેટ કોરે, તે દરેક પ્રયોગો હજી એક વધુ સક્ષમ કરે છે વૈજ્ઞાનિક પ્રશ્નનો જવાબ આપ્યો કે આપણે અહીં પૃથ્વી પર કરી શકીએ નહીં અને તેથી તે એક અલગ લેન્સ જેવું છે, અમને જવાબો જોવા દે છે જેવા પ્રશ્નો માટે, દહનનું શું? પ્રવાહી ગતિશીલતા વિશે શું? હવે ઉંઘવુ આનંદદાયક છે. મારો પ્રિય મારો મતલબ, તમે હોઈ શકો ઉધું-ચત્તુ, જમણી બાજુ ઉપર મારા પ્રિય વળાંકવાળા થોડી બોલમાં અને મુક્ત રીતે તરતા લોન્ડ્રી ના અમે અમારા ગંદા કપડા લોડ કરીએ છીએ. ખાલી સપ્લાય વહાણમાં અને તેને અવકાશમાં મોકલો. સ્નાનગૃહ. દરેક જણ જાણવા માંગે છે. તે સમજવું મુશ્કેલ છે, તેથી મેં થોડી વિડિઓ બનાવી, કારણ કે હું બાળકોને સમજવા માંગતો હતો કે વેક્યૂમનો સિદ્ધાંત દિવસ બચાવે છે અને તે માત્ર એક નમ્ર પવન બધું જ કરવામાં મદદ કરે છે, જ્યાં તે માનવામાં આવે છે. ઠીક છે, વાસ્તવિક જીવનમાં તે કરે છે. રિસાયક્લિંગ. અલબત્ત. તેથી અમારું પેશાબ લઈએ તેનેસંગ્રહિત કરીએ છીએ, અમે તેને ફિલ્ટર કરીએ છીએ અને પછી અમે તેને પીએ છીએ અને તે ખરેખર સ્વાદિષ્ટ છે.